એક દીવસ, મારી મમ્મી એક વિજ્ઞાન-સાહિત્ય મૂવી "બ્લૅડ રનર" ની વિડિઓકેસેટ ઘરે લાવી . મને સ્પષ્ટ યાદ છે લોસ એન્જલસના ભવિષ્યના અદભૂત આર્કિટેક્ચરલ દ્રષ્ટિ દ્વારા, વખાણવામાં આવે છે, એવું સ્થળ કે જે મેં પહેલાં ક્યારેય જોયું ન હતું. તે દ્રષ્ટિ એક પ્રકારનુ મુખ્ય દિવાસ્વપ્ન બની. જ્યારે હું એલ. એ. પહોચ્યો ડિઝાઇન મીડિયા આર્ટ્સમાં સ્નાતક કાર્યક્રમ માટે, મેં એક કાર ભાડે લીધી અને ડાઉનટાઉન ચલાવ્યું નજીકના ભવિષ્યની તે અદભૂત દુનિયા જોવા માટે. મને એક ચોક્કસ રેખા યાદ છે કે જે મારા માથા પર રમે છે: એક દ્રશ્ય જ્યારે એન્ડ્રોઇડ રચેલ ને ભાન થયું કે તેની યાદો હકીકતમાં તેની ન હતી, અને જ્યારે ડેકાર્ડએ તેણીને કહ્યુ તે બીજા કોઈક ની યાદો છે. ત્યારથી, મારી પ્રેરણા એક આ પ્રશ્ન છે. મશીન કોઈ બીજાની યાદો સાથે શું કરી શકે છે? અથવા બીજા શબ્દોમાં કહીએ તો, એકવીસમી સદીમાં એ. આઈ થવાનો શું અર્થ છે? કોઈપણ એન્ડ્રોઇડ અને એ. આઈ મશીન જ્યાં સુધી આપણે તેની સાથે સહયોગ કરીએ છીએ ત્યાં સુધી બુદ્ધિશાળી છે . તે વસ્તુઓ બનાવી શકે છે, જે માનવ-બુદ્ધિ ઉત્પન્ન કરવા માગે છે પરંતુ તેમ કરવાની ક્ષમતા નથી. ઉદાહરણ તરીકે, તમારી પ્રવૃત્તિઓ અને સામાજિક સબંધો વિષે વિચારો. જેટલા વધુ તમે તેની સાથે જોડાઓ છો તેટલી તે વધુ યોગ્ય બને છે. જો મશીન શીખી ને યાદોની પ્રક્રિયા કરી શકે, શું તેઓ સ્વપ્ન પણ જોઈ શકે છે? ભ્રમ? અનૈચ્છિક રીતે યાદ રાખો, અથવા જોડાણો બનાવો અનેક લોકોના સપના વચ્ચે? એકવીસમી સદી માં એ. આઈ બનવાનો મતલબ કશુ ભૂલવાનું નથી? અને, જો એમ હોય તો, તે સૌથી ક્રાંતિકારી વસ્તુ નથી જેનો આપણે અનુભવ કર્યો છે અમારા સદીઓ-લાંબા પ્રયત્નમાં સમગ્ર મીડિયાનો ઇતિહાસ આવરી લેવા માટે? બીજા શબ્દોમાં, આપણે ક્યાં સુધી આવ્યા છીએ રીડલી સ્કોટના "બ્લેડ રનર" થી? તેથી મેં મારો સ્ટુડિયો સ્થાપિત કર્યો અને આમંત્રિત કર્યા આર્કિટેક્ટ્સ, કોમ્પ્યુટર અને ડેટા સાયન્ટિસ્ટ, ન્યુરોસાયન્ટિસ્ટ, સંગીતકારો અને દરેક વાર્તાકારોને મારા સપના સાકાર કરવા જોડાવા માટે. શું ડેટા રંગદ્રવ્ય બની શકે છે? આ અમે પુછેલો પહેલો પ્રશ્ન હતો જ્યારે આર્કીટેક્ચરમાં મીડિયા આર્ટ્સને એમ્બેડ કરવા માટે અમારો પ્રવાસ શરૂ થયો, વર્ચ્યુઅલ અને ભૌતિક વિશ્વોને ટકરાવવા માટે. તેથી અમે કલ્પના કરવાનું શરૂ કર્યું જેને હું ડેટાના કાવ્યાત્મક કહીશ. અમારા પ્રથમ પ્રોજેક્ટ્સમાંથી એક, "વર્ચ્યુઅલ ડેપીકસન", એક જાહેર ડેટા શિલ્પ ભાગ હતો સાન ફ્રાન્સિસ્કો શહેર દ્વારા કાર્યરત. કાર્ય પ્રેક્ષકોને આમંત્રણ આપે છે એક જોવાલાયક સૌંદર્યલક્ષી અનુભવનો ભાગ બનવા માટે જીવંત શહેરી જગ્યા માં શહેરના જ જોડાણોના પ્રવાહી નેટવર્કનું નિરૂપણ કરીને. અને